મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આંતરરાષ્ટ્રીછેય યોગ દિન નિમિત્તે જણાવ્યું છે કે યોગ અભિયાન એ સાચા અર્થમાં જન અભિયાન બની ગયું છે આજે સવારે છ વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધીમાં રાજ્યના ચાલીસ તાલુકામાં હળવોથી ભારે વરસાદ નોંધાયો છે કચ્છના માંડવીમાં સવારના ચારથી દસ વાગ્યા સુધીના છ કલાકમાં ધોધમાર સાડા છ ઈંચ વરસાદ ખાબકી ગયો છે પાટણ જિલ્લામાં કોરોનાના આજે વધુ ચાર કેસ નોંધાયા છે તાપી જિલ્લામાં સોશિયલ મીડીયાના ડિજીટલ માધ્યમથી એક લાખ સત્તર હજાર ચાર સો સોળ લોકોએ વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો બાયડમાં સોળ ભિલોડામાં વીસ મેઘરજ તેર ધનસુરા બાવીસ જ્યારે માલપુરમાં બે પોઝિટિવ કેસ નોંધાઈ ચુક્યા છે સવારે દસ વાગીને ત્રણ મિનિટે શરૂ થયેલું સૂર્યગ્રહણ બપોરે એક એક વાગીને બત્રીસ મિનિટે પૂર્ણ થયું હતું તેમણે લોકોને યોગને એક દૈનિક દિનચર્યાના સ્વરૂપે અપનાવવાની અપીલ કરી રાવલે એ એક ટવીટ સંદેશામાં તેમણે જણાવ્યું કે યોગ વિજ્ઞાન એ આખા વિશ્વને ભારત દ્વારા અપાયેલ અમૂલ્ય ભેટ છે સેન્ટર અને કન્ટેઇનમેન્ટ ઝોન નક્કી કર્યા છે આ આપણી શ્વાસ પ્રણાલી અને રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરે છે તો સંક્રમિતોની કુલ સંખ્યા એકતાલીસ થઈ ની થઈ જેમાં છત્રીસ લોકો સાજા થઇ ને ઘરે પરત ફર્યા છે બે ઇંચ વરસાદ થયો છે માત્ર બે માસની બાળકીથી લઈ એંસી વર્ષિય વૃધ્ધા સુધીના કોરોનાના દર્દીઓને જિલ્લાની તબીબી ટીમે કોરોના મુક્ત કર્યા છે મોડાસા શહેરમાં કોરોનાના સૌથી વધારે નેવ્યાસી જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં એકત્રીસ મળી મોડાસા પંથકમાં કોરોનાના કુલ કેસ એક સો વીસ કેસ નોંધાઈ ચુક્યા છે અરવલ્લી જિલ્લામાં કોરોનાના વધુ છ પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોનાનો કુલ આંક એક સો ત્રાણું પર પહોંચ્યો છે આ અંગે પશ્ચિમ કચ્છ પોલીસના વડા સૌરભ તોલંબિયાએ જણાવ્યું હતું કે અગાઉ બિનવારસી હાલતમાં મળેલા પેકેટ્સ કરતાં આ થોડાક અલગ છે કચ્છ સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ થયો જેમાં પારડી તાલુકા બાલદા ગામના કામડી ફળિયાના હદ વિસ્તારને કન્ટેઇન્મેનટ ઝોન નક્કી કર્યો છે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે શુભકામનાઓ પાઠવી છે શહેરના આઝાદ ચોક રામેશ્વર કોલોની નવાપરા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયાં છે યોગ જિલ્લાવાર અભયમ એક સો એક્યાસી મહિલા હેલ્પલાઇન દ્વારા યોગ દિવસની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી હાલ મોડાસા અને વાત્રકની કોવિડ હોસ્પિટલમાં એકતાલીસ જેટલા દર્દીઓ સારવાર લઇ રહ્યા છે વરસાદના કારણે શહેરની શોભા સમાન ટોપણસર તળાવમાં પાણીની જોશભેર આવક શરૂ થઈ ગઈ છે ભાવનગરમાં કુલ પોઝીટીવ દર્દીઓની સંખ્યા વધીને એક સો નેવું થઇ છે અભયમ શેક્યુ વાનના મહિલા કાઉન્સેલર મહિલા પોલીસ કર્મચારી અને પાઇલોટ ધ્વારા વિવિધ પ્રકારના યોગ કરવામાં આવ્યા હતા છોટાઉદેપુર નગરના મકરાણી મહોલ્લા માં એક વ્યક્તિનું કોરોનાના સંક્રમણથી મોત નિપજ્યું છે હોસ્ટિવલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે પાંચ ઈંચ વરસાદ થયો છે ભાવનગરમાં અત્યાર સુધી ચૌદ લોકોના મોત થયા છે ચોવીસ કલાક કાર્યર મહિલા હેલ્પલાઇન યોગ ધ્વારા મજબૂત મનોબળ કેળવી મુશ્કેલી મા મુકાયેલ મહિલાઓ સુધી સેવા પહોંચાડવાનો દ્રઢ સંકલ્પ કરવામાં આવ્યો હતો આજે સવાર સુધીમાં પોરબંદર તાલુકામાં પાંચ।